જાતિવાદના બધા પરિણામ અને ઐતિહાસિક અને પ્રણાલીગત ભેદભાવ હવે કોવિડ-નાઈનટીન દ્વારા સંયોજન કરવામાં આવે છે. અમારું વ્યાપક મોડેલ કેવિડ ની લદ્દતમાં હાર્લેમ ચિલ્ડ્રન્સ ઝોનને અનન્ય રીતે સ્થાન આપે છે. આપણે હાર્લેમમાં જમીન પર સફળતા મેળવી છે તેને આવશ્યક બનાવે છે, અને આપણે જ જાણીએ છીએ તેને વહેંચવાની જવાબદારી આપણી છે દેશ સાથે. અમે એક વ્યાપક કેવિડ - નાઈનટીન રાહત અને પુનપ્રાપ્તિ પ્રતિસાદ વિકસિત કર્યો છે અમારા સમુદાય માટે, જે આપણા સમુદાયમાંથી બહાર આવ્યું છે, પાંચ પ્રાથમિક જરૂરિયાતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને પહેલેથી જ સીન જેવા પરિવારોની સેવા કરી રહ્યાં છે. તે નીચે મુજબ છે. એક, કટોકટી રાહત ભંડોળ. અમે જાણીએ છીએ કે આપણા પરિવારોને હમણાં તેમના હાથમાં રોકડની જરૂર છે. બે, આપણા સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરો. અમે જાણીએ છીએ કે આપણા પરિવારોને આવશ્યક ચીજો અને માહિતીની જરૂર છે. તેથી તે ખોરાક અને માસ્ક છે, તે ક્યુરેટેડ સંસાધન સૂચિ અને જાહેર આરોગ્ય અભિયાનો છે. ત્રણ, ડિજિટલ વિભાજન પુલ. અમારું માનવું છે કે ઇન્ટરનેટ એ મૂળભૂત અધિકાર છે. તેથી પરિવારો સંપર્કમાં છે તેની ખાતરી કરવાની જરૂર છે, અને ઘરનાં બધાં સ્કૂલ-વયનાં બાળકો પાસે યોગ્ય શિક્ષણ ઉપકરણો હોય ચાર, શીખવાની શૂન્ય ખોટ. અમે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ પર જોખમ રહેલું છે તેમના શિક્ષણનું આખું વર્ષ ગુમાવવું. આપણે ખાતરી કરવી કે આપણે ઉચ્ચગુણવત્તાની વ્યચ્યુઅલ પ્રોગ્રામિંગ આપી રહ્યાં છીએ, શાળાના પુનપ્રવેશ માટે સલામત રાખવાની યોજના ઉપરાંત. અને પાંચ, માનસિક આરોગ્ય સંકટને ઘટાડવું. ત્યાં પેઢીને પીટીએસડી થવાનું જોખમ છે, મોટા પ્રમાણમાં ઝેરી તણાવને લીધે. આપણે ખાતરી કરવાની જરૂર છે કે પરિવારોને ટેલિહેલ્થની પહોંચ છે અને અન્ય વ્યુચુઅલ સહાય. અમેરીકાના છ શહેરોમાં છ આકર્ષક ભાગીદારો છે જે તેમના સમુદાયમાં તેમના સંદર્ભ માટે અમારા મોડેલને અપનાવી રહ્યા છે. તેઓ ઓકલેન્ડ, મિનીઆપોલિસ, શિકાગો, ડેટ્રોઇટ, નોર નેવાર્ક અને એટલાન્ટા. તે ભાગીદારો ઉપરાંત, અમારી પાસે ત્રણ રાષ્ટ્રીય ભાગીદારો છે, જે અમારા મોડેલને અને અમારી વ્યૂહરચનાઓને શેર કરશે તેમના નેટવર્ક દ્વારા, નીતિની હિમાયત દ્વારા આ અમારા પ્રભાવને વિસ્તૃત કરવા ઉપરાંત. અમે તન સ્તરો પર અસર કરીશું. હાર્લેલમાં જમીન પર વ્યક્તિગત અસર, શિક્ષનના અનેક પરિણામોમાં, આરોગ્ય માં, અર્થશાસ્ત્ર માં, લોકો સુધી પહોંચે છે. છ શહેરોમાં સમુદાય-સ્તરની અસર છે, ફરીથી અમારા આશ્ચર્યજનક ભાગીદારો દ્વારા, જે વધારે લોકો સુધી પહોંચશે. અને પછી રાષ્ટ્રીય અસર, માત્ર નીતિની હિમાયત દ્વારા જ નહીં, પરંતુ સ્કેલ ક્ષમતા પર નિર્માણ દ્વારા. કેવિડ -નાઈનટીન નો અમારો જવાબ, નિરાશા અને અસમાનતા જે આપણા સમુદાયોને લપેટશે, વ્યાપક સેવાઓ સાથેના પડોશીઓને લક્ષ્ય બનાવી રહ્યું છે. અમું ચોક્કસ આશા ગુમાવી નથી.